જેમાં તેઓ આશ્રય શોધી રહ્યા છે. ઇતિહાસ બનાવે છે કે પ્રથમ જૂથ અને છીનવી શકાય છે તેમના અધિકારો ભાગ્યે જ છેલ્લા છે અને ઘણા અમેરિકનો અને યુરોપિયનો અપારદર્શક સ્વીકારવા લાગે છે અને નોનસિટીઝન્સ માટે અન્યાયી કાનૂની પ્રણાલી, કારણ કે તેઓ માને છે કે તેઓ રોગપ્રતિકારક છે, પરંતુ આખરે આ સરમુખત્યારશાહી આદર્શો ઉપર લોહી વહેતું થયું અને નાગરિકોને પણ અસર કરે છે. હું આ જાતે શીખી જ્યારે યુ. એસ. સરકારે મને મૂક્યો ગેરકાયદેસર સૂચિ પર મારા કામ મદદ માટે સરહદ પર ઇમિગ્રન્ટ્સ. એક દિવસ ના જાન્યુઆરીમાં હું મારી સેન ડિએગોમાં જતો હતો અને સરહદ પાર મારા ઘરે પાછા મેક્સિકો જવા માટે. મેક્સીકન અધિકારીઓ, જોકે તેઓ હતા મને માન્ય વીઝા આપ્યો, અને રોકી અને મને કહ્યું કે હું દેશમાં પ્રવેશ કરી શક્યો નહીં ,કારણ કે એક વિદેશી સરકાર મારા પાસપોર્ટ પર મુસાફરીની ચેતવણી આપી હતી, મને નિયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા જોખમ તરીકે મને અટકાવામાં લઇને પૂછપરછ કરવામાં આવી હતી. કલાકો સુધી ગંદા રૂમમાં. મેં મેક્સીકન અધિકારીઓને વિનંતી કરી અને મેક્સિકો પાછા જવા દેવા માટે અને મારા પુત્રને પસંદ કરો, જે તે સમયે માત્ર દસ મહિનાનો હતો, પરંતુ તેઓએ ના પાડી અને તેના બદલે તેઓએ મને ફર્ ફેરવ્યો સીબીપી અધિકારીઓને, જ્યાંરે મને પાછો ફર્યો યુનાઇટેડ સ્ટેટ્સમાં. બીજો વિઝા લેવામાં મને અઠવાડિયા લાગ્યો, જેથી હું પાછો મેક્સિકો જઈ શકું અને હું સરહદ પર ગયો. વિઝા હાથમાં, પરંતુ ફરીથી મને અટકાવામાં લઇને પૂછપરછ કરવામાં આવી કારણ કે હજી પણ હતો મારા પાસપોર્ટ પર મુસાફરીની ચેતવણી. થોડી વાર પછી, આંતરિક સીબીપી દસ્તાવેજો લીક થયા પુષ્ટ કરી કે મારા પોતાની સરકાર જારી કરવામાં જટિલતા હતી મારી સામે આ મુસાફરીની ચેતવણી. અને ત્યારથી મેં મુસાફરી કરી નથી કોઈપણ અન્ય દેશોમાં, કારણ કે મને ડર છે કે મને અટકાયતમાં લઇ લેવામાં આવશે અને તે દેશોમાંથી દેશનિકાલ. અને તે વસ્તુ જે મને ખૂબ નિરાશ કરે છે કે તમે બધા સમાન પસંદગીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તમે હજી સુધી તે સમજી શક્યા નથી અને હું જાણું છું, ત્યાં છે સારા લોકો ત્યાં બહાર. મેં તમારા હજારો લોકોને શેરીઓમાં જોયા, વિરોધ કુટુંબ અલગ અને તે મોટા પ્રમાણમાં મદદ કરી સત્તાવાર નીતિઓનો અંત લાવો, પરંતુ આપણે જાણીએ છીએ કે સરકાર હજી બાળકોને અલગ કરી રહ્યું છે અને વસ્તુઓ ખરેખર કથળી રહી છે. આજે, યુ. એસ. સરકાર અધિકાર માટે લડવું છે. શરણાર્થી બાળકો અટકાયત કરવા માટે અન્છિત જેલ કેમ્પમાં. આ પૂરું થયું નથી.